વિવિધ પ્રકારના ફર્નિચર માટે તમારે કયા પ્રકારના લાકડામાં રોકાણ કરવું જોઈએ તે પણ અમે નજીકની નજીકથી સમજસીયેશું. ચાલો, શરૂ કરીએ. ભારતીય વૂડ્સના પ્રકાર અને તેમની મિલકતો. સાગના લાકડાની ફર્નિચર ડિઝાઇન. સાગનું લાકડું, જેને હિન્દીમાં સાગૌન તરીકે ઓળખવામાં આવે છે, તેને તે ભારતીય લાકડાના શ્રેષ્ઠ પ્રકાર તરીકે જાણીતું છે. તે પ્રકૃતિમાં આગ-પ્રતિરોધક છે અને અત્યંત ટકાઉ છે. સાગના લાકડામાંથી બનાવેલા ફર્નિચરમાં મત્રમુગ્ધ કરી દેનારી અનાજની પેટર્ન હોય છે. તે સ્પર્શ માટે નરમ હોય છે અને પ્લાયવુડમાંથી બનેલા ફર્નિચરની તુલનામાં પોલિશ કર્યા પછી સમૃદ્ધ બ્રાઉન રંગ ધરાવે છે. આમ, તે ભારતમાં ઉપલબ્ધ લાકડાનો સૌથી મોંઘો પ્રકાર છે. સાગૌન પોલિશ કર્યા પછી અત્યંત મંત્રમુગ્ધ દેખાવા માટે જાણીતું છે અને આધુનિક લાકડાની ફર્નિચર ડિઝાઇન માટે યોગ્ય છે. સાગનું લાકડું કુદરતી રીતે જંતુ વિરોધી છે અને તેથી કીડીઓ અને અન્ય પ્રકારની જીવાતોથી નાશ પામતું નથી. હવામાનની ઘટનાઓને લીધે પણ સાગનું લાકડું જેમ છે તેમ રહેવા માટે જાણીતું છે, તેની ઉચ્ચ તાણ શક્તિને કારણે. ભારતનું સાગનું લાકડું ફક્ત દેશના મધ્ય અને દક્ષિણ ભાગોમાં જોવા મળે છે. તમે બહારના ફર્નિચરની ડિઝાઇન માટે સાગના લાકડાનો ઉપયોગ કરી શકો છો, જેમ કે રેક્લાઇન્સ. રોઝવુડ ફર્નિચર ડિઝાઇન. ભારતીય રોઝવુડ, જે સંસ્કૃત અને હિન્દીમાં 'શીશમ' તરીકે જાણીતું છે, તે સારી રીતે દાણાદાર અને મજબૂત પ્રકારનું લાકડું છે. તે વિવિધ કદમાં આવે છે અને તેનો ઉપયોગ અનન્ય ઘરેણાં અને કેબિનેટ બનાવવા માટે થઈ શકે છે. શીશમ ભારતના રાજ્યો કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશામાં સરળતાથી ઉપલબ્ધ છે. શીશમનો ઉપયોગ સામાન્ય રીતે કેબિનેટ અને સ્ટોરેજ યુનિટ્સ જેવા ફર્નિચર બનાવવા માટે થાય છે. પ્રાચીન કાળથી અત્યાર સુધી ગાણિતિક ઉપકરણો પણ ભારતીય રોઝવુડમાંથી બનાવવામાં આવ્યા છે. શીશમનો સામાન્ય રીતે બાથરૂમ ફર્નિચર, ક્રોકરી, સંગીતનાં સાધનો વગેરેમાં ઉપયોગ થતો જોવા મળે છે. તમે ભવ્ય બેડ તેમજ બેડસાઇડ ટેબલ, ક્રોકરી અને સંગીતનાં સાધનોની ડિઝાઇન માટે રોઝવુડનો ઉપયોગ કરી શકો છો. સાટીનવુડ ફર્નિચર ડિઝાઇન. સાટીનવુડ મજબૂત અને ટકાઉ ભારતીય લાકડું છે તેના જેનો ઉપયોગ ભારતના લાકડાના ફર્નિચરની ડિઝાઇનમાં વ્યાપકપણે થાય છે. પોલિશ કર્યા પછી, તે બધું ચમકતું થઈ જાય છે. સાટીનવુડ દેશના મધ્ય અને દક્ષિણ ભાગોમાં પણ જોવા મળે છે. તે મોટે ભાગે લાકડાના માળ નાખવા માટે વપરાય છે, તેના કુદરતી ફિનિશ માટે આભાર. સાટિન સમય જતાં ઘસાઈ જાય છે, તેથી એવી ભલામણ કરવામાં આવે છે કે તેને નિયમિતપણે પોલિશ કરવામાં આવે.